પ્રજાસત્તાક દિવસની પરેડમાં સામેલ થવા માટે ઈશિતાએ ઘણી મહેનત કરી હતી. જે દેશની સેવા કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ઈશિતા અગ્નિપથ યોજના હેઠળ સંરક્ષણમાં જોડાશે સેલિબ્રિટી ફોટોગ્રાફર વરિન્દર ચાવલાએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ અંગે જાણકારી આપી હતી. આ પોસ્ટમાં જણાવ્યું હતું કે, ભોજપુરી સુપરસ્ટાર રવિ કિશનની દીકરી ઈશિતા શુક્લા અગ્નિપથ યોજના હેઠળ સંરક્ષણ દળોમાં જોડાશે. ચાહકો આ બંનેની જોડી પર ઘણો પ્રેમ વરસાવે છે. આ કપલ ઘણીવાર કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. વિરાટ અને અનુષ્કા શર્મા માત્ર અંગત જીવન જ નહીં પરંતુ પ્રોફેશનલ લાઈફને લઈને પણ ચર્ચામાં આવે છે. હાલમાં જ આ બંને વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. થોડા સમય પહેલા પ્રખ્યાત સિંગર કિશોર કુમાર નો જુહુનો બંગલો વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ લીઝ પર લીધો હતો અને હવે તાજેતરના અહેવાલો અનુસાર, બંનેએ મુંબઈ માં એક નાનકડો ફ્લેટ ભાડે રાખ્યો છે, જેની કિંમત સાંભળીને તમારા હોશ ઉડી જશે. અહેવાલો મુજબ, વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ તાજેતરમાં જ મુંબઈના પોર્શ એરિયા જુહુમાં એક ફ્લેટ ભાડે લીધો છે. તેમનું એપાર્ટમેન્ટ હાઈ ટાઈડ બિલ્ડિંગના ચોથા માળે છે. રિપોર્ટ્સ અનુસાર, અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ ભાડે લીધેલો આ ફ્લેટથી આખો સીવ્યૂ દેખાય છે. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના આ નવા ફ્લેટનું ભાડું લગભગ બે લાખ છોતેર હજાર એટલે કે લગભગ પોણા ત્રણ લાખ રૂપિયા છે અને આ ફ્લેટ માટે કપલે લગભગ સાત પોઈન્ટ પાંચ લાખ રૂપિયા જમા કરાવ્યા છે. તમને જણાવી દઈએ કે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના જુહુમાં ભાડાના ઘરના માલિક અન્ય કોઈ નહીં પરંતુ પૂર્વ ક્રિકેટર સમરજિત સિંહ ગાયકવાડ છે. વિરાટ-અનુષ્કાએ કિશોર કુમારનો બંગલો પણ લીઝ પર લીધો છે: અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ અગાઉ ગાયક કિશોર કુમારનો બંગલો બાર ઓક્ટોબર, બે હજાર બાવીસ ના રોજ લીઝ પર લીધો હતો, જ્યાં દંપતીએ પોતાનું રેસ્ટોરન્ટ ખોલ્યું હતું, જેને તેમણે આઠ નામ આપ્યું હતું. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ શા માટે જુહુમાં ભાડા પર ફ્લેટ લીધો છે તેનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનો વર્લીની ઓમકાર બિલ્ડીંગમાં પોતાનો ફ્લેટ છે. આ બિલ્ડીંગમાં આ કપલનો પાત્રીસ મા માળે ફ્લેટ છે. રિપોર્ટ્સ અનુસાર તેમના આ ફ્લેટની કિંમત લગભગ ચોત્રીસ કરોડ રૂપિયા છે. આ સિવાય અનુષ્કા શર્મા પાસે વર્સોવામાં એક મોટો ફ્લેટ છે.